તમારી બાલ્કનીમાં કલા ઉમેરો. તમે તમારી બાલ્કની દિવાલોમાં તમારી પસંદગીના ચિત્રો ઉમેરી શકો છો. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિને આકર્ષવા માટે વાસ્તુ અને ફેંગશુઈ દ્વારા માન્ય પેઇન્ટિંગ્સ પસંદ કરો. તમારી દિવાલને છોડથી ઉષ્ણકટિબંધીય બનાવો. બાલ્કનીની દિવાલો પર સુંદર છાજલીઓ ઉમેરો અને તમારી બાલ્કનીની દિવાલને આકર્ષક બનાવવા માટે છોડ અથવા સુંદર નાની સુશોભન વસ્તુઓ રાખો. તમારા ને તમારી બાલ્કનીની દિવાલો પર લટકાવો. તમારા પોતાના બનાવો, જેમ કે પ્લેટ અને તેને તમારી બાલ્કનીની દિવાલો પર લટકાવો. લટકાવવા માટે તમે ગોળાકાર અથવા લંબચોરસ પ્લોટોનો ઉપયોગ કરી શકો છો. તમારી બાલ્કનીની દિવાલોને અનોખા સ્ટીકરોથી સજાવો. કેટલાક વોલ સ્ટ્રાઈકર્સ ઉપલબ્ધ છે. ફ્લોરલ પ્રિન્ટ અને પ્રિન્ટથી લઈને વિવિધ કદના અન્ય વિવિધ પેટર્ન સુધીની શ્રેણી ધરાવે છે. તમે તેને પસંદ કરી શકો છો અને તેને તમારી બાલ્કનીની દિવાલો પર ચોંટાડી શકો છો. સારાંશબાલ્કની વોલ આઇડિયાઝ કદાચ પહેલાં તમે બાલ્કનીની દિવાલના વિવિધ વિચારોમાંથી પસાર થયા હોવ પરંતુ આમાંથી પસાર થઈ પછી તમે ફક્ત તફાવત કહી શકો છો. અમે તમારા ઘરની સૌથી વિશિષ્ટ બાલ્કની દિવાલ ડિઝાઇન લાવવાનો પ્રયાસ કર્યો છે. હોમ ડેકોર પર વધુ બેડરૂમ સજાવતા વિચારો આયર્ન સીડી ડિઝાઇન સીડીની બહારની ડિઝાઇન ન્યૂનતમ ઘર સજાવટના વિચારો ડાઇનિંગમાં રૂમ લેઆઉટ વિચારો બાલ્કની ગ્રીલ ડિઝાઇન ડુપ્લેક્સ હાઉસ માટે સીડી સીડી કપબોર્ડ વિચારો હેઠળ અજય દેવગન હાઉસ શિવશક્તિકિંમત, સરનામું, પ્રવાસની અંદર, નવીનતમ ફોટા અને વધુ બોલિવૂડના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક, વિશાલ વીરુ દેવગન, વ્યવસાયિક રીતે અજય દેવગન તરીકે ઓળખાય છે, તેમની કિટ્ટીમાં થી વધુ ફિલ્મો સાથે દાયકાની લાંબી કારકિર્દી છે. તે આખી જીંદગી મુંબઈમાં રહ્યો છે અને તેણે શહેરમાં સુંદર ઘર બનાવ્યું છે. મુંબઈમાં અજય દેવગનનું ઘર ચાહકોમાં ઘણું લોકપ્રિય છે અને તે 'શિવશક્તિ' તરીકે ઓળખાય છે. પ્રવાસીઓ અને ચાહકો તેમના મનપસંદ અભિનેતાની એક ઝલક મેળવવા માટે જુહુનીઇમારતમાં ઉમટી પડે છે, જેમણે પણ એટલીલોકપ્રિય અભિનેત્રી, કાજોલ સાથે લગ્ન કર્યા છે. તેઓ બોલિવૂડના સૌથી પ્રિય કપલ્સમાંથી એક છે. તેઓ પ્રથમ વખત માં ફિલ્મ "હુલચુલ" ના સેટ પર મળ્યા હતા અને બાદમાં "ઇશ્ક," "પ્યાર તો હોના હી થા," અને "રાજુ ચાચા" સહિત ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંને કલાકારોએ માં એક ખાનગી સમારંભમાં ગાંઠ બાંધી હતી અને ત્યારથી તેઓ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ ટીમ અજય દેવગણ દ્વારા શેર કરાયેલ પોસ્ટ સંસ્મરણોને જીવંત રાખવા માટે કુટુંબના ફોટાઓ સાથે એક સૂક્ષ્મ રૂમની સજાવટ સિંઘમ,લિજેન્ડ ઓફ ભગત સિંહ અને તાનાજી જેવી અજવ દેવગનની કેટલીક સૌથી યાદગાર પર અને પુરસ્કાર વિજેતા ફિલ્મો સાબિત કરે છે કે તે કાચડ